સંજયસિંહ રાઠોડ. સુરતઃ ભારતમાં ક્રિકેટનો ક્રેઝ સાતમા આસમાને છે. ક્રિકેટ પ્રેમીઓ ક્રિકેટરને ભગવાનનું અને ક્રિકેટને ધર્મનું બિરુદ પણ આપે છે. ક્રિકેટ ચાહકો ક્રિકેટ પ્રત્યેનો પોતાનો ક્રેઝ અલગ અલગ રીતે વ્યક્ત કરી રહ્યા છે. એપિસોડમાં ડાયમંડ સિટી સુરતના એક ક્રિકેટ પ્રેમી હીરાના વેપારીએ ક્રિકેટ પ્રત્યેનો પોતાનો પ્રેમ દર્શાવવા માટે એક વાસ્તવિક હીરાનું બેટ તૈયાર કર્યું છે. તેના માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં લગભગ એક મહિનાનો સમય લાગ્યો હતો. રિયલ ડાયમંડ બેટ બનાવવા માટે એક કેરેટ ઓરિજિનલ રફ ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેરેટ જેન્યુઈન ડાયમંડનુંબેટ ટેકનિકલ તૈયાર કરવામાં આવ્યું છે. સુરતના ક્રિકેટ ફેન ડાયમંડ બિઝનેસમેનના રિયલ ડાયમંડ બેટ બનાવવા પાછળ બે ઉદ્દેશ્ય છે. એક બિઝનેસમેનઅસલ ડાયમંડ બેટ દ્વારા તેના ફેવરિટ ક્રિકેટર વિરાટ કોહલીને પોતાનો ક્રિકેટ પ્રેમ બતાવવા માંગે છે અને તે તેનેકિંમતી ભેટ આપવા માંગે છે. બીજો લેબગ્રોન હીરા અને વાસ્તવિક હીરા વચ્ચેનો તફાવત સમજાવવા માંગે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિની પત્નીને કેરેટનો લેબગ્રોન ડાયમંડ પણ ભેટમાં આપ્યો હતો. દેશના એક મોટા ક્રિકેટરને કુદરતી હીરાનું બેટ ભેટમાં આપવા માગે છે. લેબગ્રોન હીરા અને કુદરતી હીરા જ્યારે તૈયાર થાય ત્યારે તે વચ્ચેનો તફાવત જણાવવો મશીન વિના ખૂબમુશ્કેલ છે.